સરળ રંગોળી ડિઝાઇનસ્ટેન્સિલરેતીની સરળ રંગોળી ડિઝાઇન રેતીની રંગોળી કલર પાવડર વડે બનાવેલી કોઈપણ રંગોળી જેવીછે. તમનેરંગીન રેતી કોઈપણ આર્ટ અને ક્રાફ્ટ સપ્લાય સ્ટોરમાં મળશે. રંગોળી બનાવવા માટે કલર પાવડરનો ઉપયોગ કેવી રીતે થાય છે તેરીતે તે કાર્ય કરે છે. તમારે ફક્ત ઇચ્છિત રચનાત્મક પેટર્નમાં રેતીને મોલ્ડ કરવાની જરૂર છે. રેતી સાથે સરળ રંગોળી ડિઝાઇનકઠોળ સાથે સરળ રંગોળી ડિઝાઇન તે અન્ય સરળ રંગોળી ડિઝાઇન છે જે તમે તહેવારોની સમગ્ર મોસમ દરમિયાન બનાવી શકો છો. સંપૂર્ણ રીતે ખાદ્ય અનાજની બનેલી એકમાત્ર રંગોળી કઠોળની રંગોળી છે. જે અનાજ રંગોળીને તેનો રંગ આપે છે તેમાં રાજમા, લીલા મગની દાળ, પીળી મગની દાળ, ચીરીઓ, ચોખા, ઘઉં, વટાણા વગેરે છે. કઠોળ સાથે સરળ રંગોળી ડિઝાઇનમા દુર્ગા નવરાત્રી રંગોળી ડિઝાઇનશુભ મા દુર્ગા રંગોળી સુંદરતા અને સમૃદ્ધિનું પ્રતિક છે. નવરાત્રીના તહેવાર દરમિયાન ઘરના નસીબ અને સારા વાઇબ્સને આમંત્રિત કરવા માટેસુંદર મા દુર્ગાના ચહેરાની રંગોળીને રંગોથી ડિઝાઇન કરો. લાલ, પીળો અને લીલો રંગનું મિશ્રણ શુભ માનવામાં આવે છે અને સમગ્ર દેશમાં પૂજાના રંગો તરીકે વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. વાઇબ્રન્ટ કલર્સ સાથે સુંદર મા દુર્ગા ફેસ નવરાત્રી રંગોળી ડિઝાઇનકેરીના પાન અને મેરીગોલ્ડ ફ્લાવર્સ સાથેની સરળ રંગોળી ડિઝાઇન પૂજા દરમિયાન આંબાના પાનને શુભ માનવામાં આવે છે. તેઓ દેવી લક્ષ્મીનું પ્રતિનિધિત્વ કરે છે અને નકારાત્મકતાને દૂર રાખે છે. ફૂલોના આકારની રંગોળી બનાવવા માટે મેરીગોલ્ડ ફૂલો સાથેપાંદડાઓનો ઉપયોગ કરો. તે એક સરળ રંગોળી ડિઝાઇન છે જે બનાવવા માટે સરળ છે પરંતુ જ્યારે તમે અંતિમ પરિણામ જોશો ત્યારે તમારા ચહેરા પર સ્મિત છોડવાની ખાતરી છે. કેરીના પાન અને મેરીગોલ્ડ ફૂલોની રંગોળી કેવી રીતે બનાવવી તેનો ખ્યાલ મેળવવા માટે નીચેની તસવીરમાંથી થોડી પ્રેરણા લો. કેરીના પાનનો ઉપયોગ કરીને સરળ રંગોળી ડિઝાઇનનાસ્તા અને મીઠાઈઓનો ઉપયોગ કરીને સરળ રંગોળી ડિઝાઇન આપણામાંના મોટા ભાગના લોકો આપણા મનપસંદ નાસ્તા અને મીઠાઈઓ ખાવા માટે તહેવારોની રાહ જુએ છે. મુરુક્કુ અને ચકલીથી માંડીને લાડુ, બરફી અને વધુ માટે, તે સ્વાદિષ્ટ આનંદ માણવા માટેનો તહેવાર છે. પરંતુ શું તમે ક્યારેય ઘર માટે સરળ અને સરળ રંગોળી ડિઝાઇન બનાવવા માટે તેનો ઉપયોગ કરવા વિશે વિચાર્યું છે? હા, તે શક્ય છે. તમારે ફક્ત તમારી મનપસંદ મીઠાઈઓ અને નાસ્તાને પ્લેટમાં મૂકવાની જરૂર છે. થાળીને મેરીગોલ્ડના ફૂલો અને દીવાઓથી ઘેરી લો. પરિણામ નીચેના ચિત્રમાં કંઈક એવું દેખાશે. તહેવારોના નાસ્તાની રંગોળી ડિઝાઇનસરળ અને સરળરંગો અને ડાયસ સાથે સરળ કમળની રંગોળી ડિઝાઇન ખાસ પ્રસંગોએ તમારા ઘરને સુંદર બનાવવા માટે ફૂલોની રંગોળી ડિઝાઇનએક સરળ રીત છે. દિવાળી હોય, હોળી હોય, નવરાત્રી હોય, અન્ય કોઈ